એ હજુ કંઈ કહે એ પહેલા વ્યોમ આવીને, સામેની ખુરશી પર બેસી ગયો, વેઈટરને ઇશારાથી બોલાવ્યો અને કહ્યું, "હું એક કોફી લઈશ, તેં કશું ઓર્ડર કર્યું છે કે કોફી ચાલશે? " અગ્નેય: "ના, કોફી ચાલશે. " વેઈટર ઓર્ડર લઇ જતો રહ્યો. વ્યોમે વાત આગળ વધરતા કહ્યું, "સોરી યાર, તું તો સાગરિકાને મારા કરતા વધારે સમયથી ઓળખે છે એટલે યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે એનું કામકાજ કેવું છે. " અગ્નેયને કશું સમજાયું નહીં. વ્યોમે તેનાં ચહેરા પરનાં ભાવ કળતા કહ્યું, "આપણે બંને એકબીજા સાથે એટલા સહજ ક્યારેય નહોતા અને કદાચ થઇ પણ ન શકીએ પણ, આ સાગરિકા જ્યાં સુધી વચ્ચે છે ત્યાં સુધી આપણું એકબીજા સાથે કોઈક કનેક્શન તો રહેવાનું જ. આજે તમારી દોસ્તીમાં એક ઈન્ટરવલ ફાઈનલ જ છે એ એવું જાણતી હતી એટલે તેણે જ મને અહીં મોકલ્યો છે એ કહેવા માટે કે, આ માત્ર એક ઈન્ટરવલ જ છે, ધી એન્ડ નહીં અને તને જયારે પણ જરૂર પડે ત્યારે અમારા ઘરે આવી શકે છે પણ, એ પહેલ કરીને સામેથી ક્યારેય તને મળશે નહીં. " અગ્નેય માટે આ તદ્દન અનપેક્ષિત હતું. વ્યોમે વાત આગળ વધારી, "તને તો ખબર જ છે કે એ દરેક મામલામાં કેટલી ક્લીયર હોય છે. આજે પણ તું તેને માટે કેટલો ખાસ છે અને એ તને છોડી નહીં જ શકે એ બાબતે બહુ ક્લીયર છે અને મને હવે એ સમજાઈ ગયું છે કે, તું કદાચ તેને માટે કંઈ ફીલ કરતો હોય તો એ સહજ છે. તમે બંને વર્ષોથી એકબીજાને ઓળખો છો અને સાગરિકા છે જ એવી કે કોઈને પણ ગમી જ જાય. એ જયારે કોઈની સાથે હોય ત્યારે, સો ટકા તેની જ સાથે હોય છે. તેની આ પ્રામાણિકતા અને સેલ્ફ્લેસ થઇ જવાની કળા આપણા સૌને માટે તેને ચાહવાનું કારણ છે એ હું જાણી ગયો છું. બાકી, એક નંબરની રોકડું પરખાવનારી છે મારી વાઈફ એટલે તને કે મને જે હશે એ મોઢે જ કહેશે તો, આગળની બહુ ચિંતા ન કરીને આપણે આ સ્ટેન્ડ બાય મોડ ચાલુ રાખીએ તો કેવું? કંઈ સપોર્ટની જરૂર પડે ત્યારે કહેજે હવે અમે બંને છીએ તારી સાથે. બાકી, તું તારે ત્યાં બધું સેટલ કર એટલું બધું સોર્ટ આઉટ થઇ જશે. " અગ્નેય તો અંદરથી હળવો થઇ ગયો. બંને કોફી પૂરી કરી અને છુટ્ટા પડ્યા. ઘરે જતી વખતે ગાડીમાં આજે ઘણાં સમયે એફએમ રેડિયો ચાલુ કર્યો. રેડિયોમાં આવતું ગાયન અગ્નેય અને વ્યોમ બંને માટે એક સરખી રીતે સાચું હતું "લી કમલી, પાસો આઈ જ્યો આ મફતિયો! " લારીમાંથી એક ટમેટું ઉઠાવતા મંજુ બોલી.